સમયસાથે, આ પ્રક્રિયા આગળ વધીને આખી ગાંઠ તોડી નાખે છે. આડકતરી રીતે, આ બીમ ના કિરણો આજુબાજુ ના ડીએનએ ને પણ તોડી નાંખે તોડી અસ્થિર કણો બનાવે છે જેને ફ્રી રેડિકલ્સ કહેવાય છે. આ જોખમી સૂક્ષ્મવાતાવરણ ઉભું કરે છે જે ગાંઠ નું નિવાસસ્થાન, અને થોડાક તંદુરસ્ત કોષો ની તરત ખાલી જગ્યારે બિન-કેન્સરગ્રસ્ત પેશીને થતુ નુકશાન અટકાવા રેડીએશન બીમ ને ક્ષેત્રમા જેટલુ બને તેટલુ ગાંઠ ની નજીક રાખીને કરવામા આવે છે. જયારે રેડીઓસર્જરી સારવાર દાંઠને તોડી નાખે, ત્યારે શરીરની કુદરતી સફાઈ રચના શરુ થાય છે. રોગપ્રતિકારક તંત્ર તરતજ મૃત કોષોને કુશળતાથી સાફ કરીને શરીરની બહાર કાઢે ત્યારે બીજા કોષો ડાઘ વાળા કોષોમા બદલાય છે. તેની નવીનતાઓ હોવા છતાં, રેડિયોસર્જરી મગજની બધી કેન્સરની સારવાર માટે હંમેશાં પ્રાથમિક પસંદગી હોતી નથી. શરૂઆત મા, તે સામાન્ય રીતે અનામત છે નાની ગાંઠો માટે. રેડિયેશન ની સંચિત અસર પણ થાય છે, મતલબ કે અગાઉના ડોઝ ઓવરલેપ થઈ શકે છે, પછીના ડોઝ સાથે. તેથી વારંવાર આવતા ગાંઠોવાળા દર્દીને ભવિષ્યમાં રેડિયોસર્જરી સારવાર મર્યાદિત થઈ શકે છે. પરંતુ આ ગેરફાયદાઓ સામે ફાયદાઓ વધારે છે. કેટલીય જાતની મગજના ગાંઠો માટે, કેન્સરગ્રસ્ત કોષોને નષ્ટ કરવામા રેડિયો સર્જરી પરંપરાગત મગજની શસ્ત્રક્રિયા સામે સફળ થઈ શકે છે . જયારે દર્દી રેડિયોસર્જરી કરે છે, ત્યારે મેનિન્જિનીઓમસ કહેવાતા ગાંઠોમાં, પુનરાવર્તન સમાન અથવા નીચું હોવાનું જોવા મળે છે . અને પરંપરાગત સર્જરીની તુલનામાં- તે ઘણીવાર દુઃખદાયી અને સારું થવામા પણ સમય લગાડે છે. જયારે રેડિયોસર્જરી સામાન્ય રીતે પીડા મુક્ત હોય છે, અને ઘણીવાર સાવ ઓછા સમય અથવા તરતજ સારું થઇ જાય છે. આ પ્રકારની સારવાર મગજની ગાંઠો માટે જ નથી: બીજી ઘણીગાંઠ જેમકે સ્વાદુપિંડ, ફેફસાં અને યકૃત વગેરે માટે પણ ઉપયોગમા લેવામા આવે છે. અને અત્યારે, ડોકટરો બીજી કેટલીક સારવાર માટે પણ પ્રયોગ કરી રહ્યા છે જેમકે પાર્કિનન્સ, એપિલેપીસી, અને ઓબ્સેસીવ કમ્પલસિવ ડિસઑડર. કેન્સર નિદાનની પીડા વિનાશક હોઈ શકે છે, પરંતુ આમાં પ્રગતિઓ બિન-આક્રમક પ્રક્રિયાઓ એક સરળ માર્ગ રસ્તો બની શકે છે. વધુ સરળ ઇલાજ માટે આ દેશમાં દરરોજ, જ્યારે પરિવારોના આરોગ્ય સંભાળની વાત આવે છે ત્યારે અશક્ય પસંદગીઓ બનાવવા માટે ફરજ પાડવામાં આવે છે . કિમ્બર્લીની જેમ, જેમણે કહ્યું, "એક વખત મારે પસંદ કરવાનું હતું મારા ખોરાક અને ગોળીઓ વચ્ચે. તે લક્ઝરી સામગ્રી નહતી, કારણ કે મેં તેટલું બનાવ્યું નથી. તે આવું એવું કે હતું, 'શું હું મેળવી શકું શેમ્પૂ કે કન્ડિશનર? ' તમે જે વસ્તુઓ લેશો તે મંજૂર છે. " અને ડેબી, જેમણે કહ્યું, "તમે તમારી દવા એક હાથમાં મૂકી, બીજામાં તમારા જીવન ખર્ચ. બરાબર. સારું, હું શું કરાવું